ફેંગ શુઇ આગળના દરવાજાને 'ક્વિનું મોં' માને છે. તેથી, તે સ્વચ્છ અને જગ્યા ધરાવતું દેખાવું જોઈએ. ઘરના આગળના દરવાજાના વિસ્તારને પ્રકાશિત કરવાથી તમારા જીવનને પણ તેજસ્વી બનાવવામાં મદદ મળી શકે છે. મુખ્ય દરવાજા વિસ્તારને તેજસ્વી રાખો. તમારી બારીઓ સાફ રાખો. સૂર્યપ્રકાશ ચાઇનીઝ વાસ્તુનું નિર્ણાયક પાસું છે. તેને તમામ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી, શક્ય તેટલો સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશવા દેવા. એક મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્ર ટિપ છે. બારીઓ સાફ કરવાથી શક્ય તેટલો સૂર્યપ્રકાશ મળે છે. અલંકારિક રીતે, તેનો અર્થ છે કે આપણા મનને સાફ કરવું અને વિશ્વને ઉચ્ચ સ્તરની સ્પષ્ટતા અને ચોકસાઇ સાથે જોવું. તમારી બારીઓ સાફ કરો. કમાન્ડિંગ પોઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરો. કમાન્ડિંગ પોઝિશન જીવનમાં તમારી સ્થિતિ દર્શાવે છે. ફેંગશુઇમાં, પલંગ 'તમે' સૂચવે છે, જ્યારે ડેસ્ક અને સ્ટોવ અનુક્રમે તમારી કારકિર્દી અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, જ્યારે પણ તમે આમાંથી કોઈપણ સ્થાન પર હોવ, ત્યારે તમેં દરવાજો કે બારીઓ પરોક્ષ રીતે જોવા માટે સમર્થ હોવા જોઈએ. તેથી,વિસ્તારોને કાળજી સાથે મૂકો અને તમારા શરીરમાં શ્રેષ્ઠ હકારાત્મક ઊર્જાનો પ્રવાહ જુઓ. આપણે બધા દરેક સંભવિત રીતે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ. તેથી, તે માત્ર અર્થમાં છે કે આપણે પ્રકૃતિ અને આપણી આસપાસના વાતાવરણ સાથે જોડાયેલા છીએ. ચાઈનીઝ વાસ્તુ આપણને એમાં મદદ કરે છે અને આપણને એવા નિયમો આપે છે જે આપણને સુખી અને સમૃદ્ધ જીવન બનાવવામાં મદદ કરી શકે.અમે તમારી સાથે કેટલીક ચાઈનીઝ વાસ્તુ ટીપ્સ અને તમે તેને તમારી જગ્યામાં કેવી રીતે લાગુ કરી શકો છો તે શેર કરીએ છીએ. આમાંથી કઈ ટીપ્સ તમારે તમારા ઘર અથવા ઓફિસમાં સામેલ કરવાની જરૂર છે? અમને નીચે ટિપ્પણીઓ વિભાગમાં જણાવો. ફેંગશુઇ અને વાસ્તુ પર વધુ કયો વાસ્તુ ખરેખર મહત્વ ધરાવે છે? ચાઇનીઝ ફેંગ શુઇ વાસ્તુઓ તમારે ઘરે લાવવી જોઈએ? ફેંગ શુઇ શું છે?